વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવે ત્યારે એમ્બિયન્ટ અને મૂડ લાઇટ્સ આર્કિટેક્ચરલ વિગતોને પ્રકાશિત કરી શકે છે. ખાસ કરીને જો પેઇન્ટિંગ અથવા શેલ્ફની બંને બાજુએ સ્થિત હોય તો સ્કોન્સ લાઇટ્સ એક ભવ્ય વાઇબ આપી શકે છે. નાના ઘરના ડિઝાઇન વિચારોનો સારાંશ એવું લાગતું નથી, પરંતુ નાના ઘરના ડિઝાઇન વિચારો તમે પહેલા કલ્પના કરી શકો તે કરતાં ઘણી બધી વસ્તુઓને સમાવી શકે છે. તમારા ઘરને આરામદાયક અને વિશાળ લાગે તે માટે મોટી બારીઓ, હળવા રંગો, અરીસાના પ્રતિબિંબ, સ્માર્ટ સ્ટોરેજ અને ફોલ્ડેબલ ફર્નિચર જેવા નવીન વિચારોનો ઉપયોગ કરો. ઉપરના બ્લોગમાં, અમે વિચારોની ચર્ચા કરી છે જે તમને બતાવશે કે તમારા નાના ઘરની ડિઝાઇનનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. આમાંથી કયો વિચાર તમને સૌથી વધુ ગમ્યો? અથવા આમાંથી કયા વિચારો તમારા ઘર માટે યોગ્ય છે? અમને નીચે ટિપ્પણીઓ વિભાગમાં તેના વિશે જણાવો. નાના ઘરો માટે વધુ વિચારો નાના ઘર માટે કિચન કેબિનેટના વિચારો નાના ઘરો માટે ગ્રીન વોલ ગાર્ડન બજેટમાં નાના બેડરૂમ માટે સજાવટના વિચારો નાના ઘરો માટે વોલ અલમિરાહ ડિઝાઇન નાના એપાર્ટમેન્ટ્સ માટે ડાઇનિંગ રૂમ લેઆઉટ વિચારો નાના કબાટ આયોજન હેક્સ નાના ઘરો માટે સિલિંગ લાઇટ ડિઝાઇન નાના ઘરો માટે ચોરસ બાથરૂમ ડિઝાઇન નાની જગ્યાઓ માટે શાકભાજીના બગીચાના વિચારો તમારા નાના એપાર્ટમેન્ટ માટે સ્લાઇડિંગ ડોર હેન્ડલ્સ નાના એપાર્ટમેન્ટ્સ માટે ડાઇનિંગ ખુરશીના વિચારો એક તરફી જેવું નાનું રસોડું સેટ કરો+.. ફોટા સાથે શ્રેષ્ઠ દીવાન બેડ ડિઝાઇનતમારા ઘરને ઉન્નત કરવા માટે જો તમે નવા પલંગ માટે બજારમાં છો અને કંઈક અનન્ય અને શુદ્ધ શોધી રહ્યાં છો, તો દિવાન બેડ ચોક્કસપણે તમારી સૂચિમાં હોવો જોઈએ. જ્યારે તે લાવણ્યના વધારાના સ્પર્શને ઉમેરવાની વાત આવે છે, ત્યારે તમારા આરામ અથવા શૈલીને બલિદાન આપ્યા વિના, તે કોઈપણ ઘર માટે શ્રેષ્ઠ રોકાણ હોઈ શકે છે. દીવાન પથારીપરંપરાગત પ્રકારનો ભારતીય પલંગ છે જે સદીઓથી ચાલી આવે છે. પલંગમાં પ્લેટફોર્મનો આધાર હોય છે જેમાં ટોચ પર ગાદલું હોય છે. પ્લેટફોર્મ સામાન્ય રીતે લાકડાનું બનેલું હોય છે અને તેમાં ઘણીવાર બિલ્ટ-ઇન સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ હોય છે. તેને નાના શયનખંડ માટે યોગ્ય પસંદગી બનાવે છે. તેથી, અભિજાત્યપણુ સાથે તેમને તમારી જગ્યાને મહત્તમ કરવામાં મદદ કરવાનો બીજો ફાયદો છે. તેના બિલ્ટ-ઇન સ્ટોરેજથી તમે તમારા રૂમમાં મૂલ્યવાન ફ્લોર સ્પેસ ખાલી કરી શકો છો. બ્લોગમાં અમે શ્રેષ્ઠ દિવાન બેડ ડિઝાઇન વિચારોની યાદી આપવા જઈ રહ્યા છીએ જે તમામ પ્રકારની વસવાટ કરો છો જગ્યામાં ફિટ થઈ શકે છે. પરંપરાગત દીવાન પથારીથી માંડીને આધુનિક અને ન્યૂનતમ ડિઝાઇન સુધી, આકર્ષક ફિનિશિંગ અને ઓછામાં ઓછા સ્ટોરેજ વિકલ્પો સાથે.